તમારેરૂમ પહેલા માળે મૂકવો જોઈએ. વાસ્તુ મુજબ ઉત્તર તરફના ડુપ્લેક્સ બંગલાની યોજના માટે તમારેવિસ્તારને સ્થાપનાના મુખ્ય ભાગથી દૂર રાખવાની જરૂર છે. આધુનિક, વિશાળ અભ્યાસ ખંડ પૂજા રૂમ ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઈએ જો તમે અને તમારો પરિવાર ધાર્મિક છો અને દરરોજ પ્રાર્થના કરો છો, તો તમારે તમારા ઘરમાં મંદિર હોવુંજોઈએ. ખાતરી કરો કે તે તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં છે. વાસ્તુ અનુપાલન મુજબ ઉત્તર તરફના ડુપ્લેક્સ હાઉસ પ્લાન માટે તમારે પૂજા રૂમને સ્વચ્છ, સુઘડ અને વ્યવસ્થિત રાખવાની જરૂર છે. ભારતીય પૂજા રૂમ સકારાત્મક ઊર્જાના પ્રવાહ માટે વિન્ડોઝ માત્ર બારીઓ ઘરમાં વધુ સારી રીતે હવાનો પ્રવાહ પૂરો પાડવા માટે મદદગાર સાબિત થતી નથી, તે સકારાત્મક ઉર્જા લાવવામાં પણ મદદ કરે છે. તેઓ ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જા દૂર કરી શકે છે અને સકારાત્મક આભા સાથે તાજી હવા લાવી શકે છે. શહેરી ડુપ્લેક્સ વિન્ડો ડિઝાઇન પ્રથમ માળ પર કેટલાક છોડ મૂકો વ્યક્તિએ ઘરના હરિયાળા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમને લાગે કે ત્યાં એક જગ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે, તો તમારેવિસ્તારમાં કેટલાક છોડ ઉમેરવા જોઈએ. તે સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરશે, અને તમારા ઘરને વધુ સારા પરિણામો મળે તેની ખાતરી કરશે. ઘરમાં છોડ બુદ્ધની પ્રતિમા મૂકો બુદ્ધની પ્રતિમા ઘરમાં શાંતિ લાવી શકે છે. તમે તમારા ઘરના પ્રવેશદ્વાર પર બુદ્ધની પ્રતિમા મૂકી શકો છો જેથી તમને આરામનો અનુભવ થાય. તમે વિવિધ પ્રકારની મૂર્તિઓ અજમાવી શકો છો અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવા માટે યોગ્ય વિકલ્પ શોધી શકો છો. આભા સાથે બુદ્ધ પ્રતિમા સીડીની ડિઝાઇન પસંદ કરો ખાતરી કરો કે તમે સીડીઓ માટે ડુપ્લેક્સ હાઉસ માટે વાસ્તુ ટીપ્સને અનુસરો છો. તે મહત્વનું છે સીડીની દિશા ધ્યાનમાં લો. તેઓ દક્ષિણ દિશામાં સ્થિત હોવા જોઈએ, અને તેમની નીચે કોઈ રૂમહોવા જોઈએ. આધુનિક મકાનમાં સીડી વડીલો ઉપરના માળે રહે ભારતીય સંસ્કૃતિમાં, પુખ્ત વયના લોકો હંમેશા ઉચ્ચ જમીન પર હોવા જોઈએ, જ્યારે નાના લોકો ઘરના નીચલા સ્તર પર હોવા જોઈએ. વડીલો પાસેથી બાળકોમાં શાણપણ લાવવામાં મદદ કરે છે. છત પેશિયો પાણીના તત્વોનું પ્લેસમેન્ટ તમારા ડુપ્લેક્સ ઘરની ઉત્તરપૂર્વ દિશા તરફ પાણીનો ફુવારો અથવા માછલીઘર જેવી પાણીની સજાવટ સ્થાપિત કરવાનું વિચારો. પાણી સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે, અને ઉત્તરપૂર્વમાં તેનું સ્થાન અનુકૂળ ઉર્જા મેળવી શકે છે. ઘરના બગીચામાં સુંદર ફુવારો ઉત્તર દિશામાં અવરોધો ટાળો ખાતરી કરો કે મોટા વૃક્ષો, થાંભલાઓ અથવા ઇમારતો સહિત કંઈપણ તમારા ડુપ્લેક્સ ઘરની ઉત્તરીય બાજુને અવરોધતું નથી. તેનાથી ઘરમાં કુદરતી પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. હાઉસિંગ વસાહતમાં આજુબાજુ વીજળીનો